છત પરના ક્લાસિક લાકડાના બીમ રસોઈની જગ્યાનું સૌથી આકર્ષક લક્ષણ વધુમાં, છત પર લટકાવેલી આકર્ષક સોનેરી પેન્ડન્ટ લાઇટ જગ્યાને જરૂર જરૂરી તમામ ગ્લેમરને આમંત્રણ આપે છે. સફેદ દિવાલો, કેબિનેટરી અને લાકડાના ટોપ સાથેના ટાપુ એક સેટિંગને પ્રાપ્ત કરવા માટે એક આદર્શ સંયોજન બનાવે છે જે વૈભવી અને ભવ્યતા વિશે બોલે છે. આગળ, લાકડાની આકર્ષક ખુરશીઓ સાથેનું રાઉન્ડ લાકડાનું ડાઇનિંગ ટેબલ સમગ્ર સેટિંગને સુંદર રીતે પૂરક બનાવે છે. ભૂલશો નહીં, સુંદર છોડનો ઉમેરો તાજગી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભરે છે. સોનેરી, લાકડાના રંગેલું ઊની કાપડ અને સફેદ રંગ ત્વરિતમાં ધ્યાન ખેંચવા માટે આકર્ષક સંયોજન બનાવે છે. જો તમે તમારા ઘરમાં ખુલ્લું રસોડું બનાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્ર મુજબ, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ રસોડાના શ્રેષ્ઠ દિશાઓ છે. બંને જગ્યાએ આગ પ્રબળ તત્વ હોવાથી તે રસોડા માટે આદર્શ બનાવે છે. આમાંથી કોઈપણ દિશામાં ખુલ્લા રસોડામાં રાંધવામાં આવતો ખોરાક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હશે. તે સુધરેલી પાચનશક્તિની દ્રષ્ટિએ પણ સ્વસ્થ રહેશે. દક્ષિણ-પૂર્વ અને દક્ષિણમાં રસોડું પણ ઘરમાં પુષ્કળ ધન લાવે છે. ઓપન કિચન બનાવવા માટે બીજી પસંદગી ઘરના પશ્ચિમ ચતુર્થાંશમાં છે. ઘરનો ભાગ સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને તમારી આર્થિક સુરક્ષા કરે છે. તે વિવિધ રીતે તમારા નસીબની પણ તરફેણ કરે છે. રસોડું બનાવવા માટે ઘરનો દક્ષિણ-પશ્ચિમ ભાગ સૌથી ખરાબ દિશા છે. વાસ્તુ અનુસાર કચરો અથવા નિકાલ માટે ફાળવેલ જગ્યા છે, અને જો તમે તમારા રસોડાની દિશા અહીં બાંધશો, તો તે ફક્ત ખરાબ સ્વાસ્થ્ય અને ખરાબ નસીબ લાવશે. ઘરનો ઉત્તર-ઈશાન ભાગ ઘરમાં સ્વાસ્થ્યનું ક્ષેત્ર માનવામાં આવે છે અને ઘરના ભાગમાં રસોડાની દિશા તમારી રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર કરશે અને પરિવારના એક અથવા વધુ સભ્યો માટે ખરાબ સ્વાસ્થ્ય લાવશે. ઘરનો ઉત્તરપૂર્વ ભાગ જળ તત્વ દ્વારા સંચાલિત છે અને વાસ્તુ અનુસાર ખુલ્લા રસોડાની દિશા માટે ભયંકર પ્લેસમેન્ટ પણ છે. પાણીના પ્લેસમેન્ટમાં ફાયર રૂમ રાખવાથી માનસિક બિમારીઓ થાય છે અને તે ઘરમાં તણાવ અને માનસિક અશાંતિ લાવી શકે છે. રસોડા માટે વાસ્તુ માટે શું કરવું? ખાતરી કરો કે તમારું રસોડું શૌચાલયની નીચે કે ઉપર હોય. રસોડામાં ક્યારેય પણ તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આવવું જોઈએ. રસોડા માટે વાસ્તુ અનુસાર તમારે ક્યારેય પણ રસોડામાં નકામા સામગ્રી રાખવી જોઈએ. ઓપન કિચન ડિઝાઇન માટે તમારે વાસ્તુ મુજબ સ્ટીલ કે લોખંડના પાત્રમાં મીઠું રાખવું જોઈએ. તમારે નિયમિતપણે રસોડું સાફ કરવું જોઈએ. રસોડાની ડિઝાઈન માટેની વાસ્તુ સૂચવે છે કે હકારાત્મકતાને આવકારવા માટે તમારે રસોડાના ફ્લોરને સારી રીતે વીંછળવું.